પ્લેટફોર્મ પથારી સામાન્ય રીતે ઓછી ઊંચાઈ ધરાવે છે અને ગાદલું રાખવા માટેનો આધાર હોય છે. આજકાલ, તમે અલગ કરી શકાય તેવા પગ સાથે પ્લેટફોર્મ પથારી પણ શોધી શકો છો. પ્લેટફોર્મ બેડ ડિઝાઇન તેજસ્વી રીતે આધુનિક આંતરિક સૌંદર્ય શાસ્ત્રને પૂરક બનાવે છે. બંક બેડ ડિઝાઇન જો તમે તમારા બાળકોના બેડરૂમ માટે બેડ શોધી રહ્યા છો, તો તમે બંક બેડ સાથે ખોટું કરી શકો. એક બેડ પર બીજા બેડ સાથે, આધુનિક બેડ ડિઝાઇન આઇડિયા ઘણી જગ્યા બચાવે છે. બંકર શૈલીમાં પથારી બનાવતી વખતે, તમે રૂમમાં બેસવા અને સંગ્રહ માટે જગ્યા બનાવી શકો છો. બાજુ પરની સીડી તમને ઉપરના પલંગ પર ચઢવા દે છે. બંક બેડ ડિઝાઇન બેડરૂમમાં સ્ટોરેજ માટે વધારાની જગ્યા પૂરી પાડે છે. ઓપન ફ્રેમ બેડ ડિઝાઇન જો તમારા બેડરૂમમાં ન્યૂનતમ થીમ છે, તો ઓપન ફ્રેમ બેડ જગ્યા માટે આદર્શ ઉમેરો બની શકે છે. ઓપન-ફ્રેમ આધુનિક બેડ ડિઝાઇન વિચારોમાં મેટલ ફ્રેમ હોય છે. ફ્રેમ્સ શૈલીઓની વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે જે ખુલ્લી લંબચોરસ જગ્યાઓ દર્શાવે છે. સામાન્ય રીતે, ઓપન ફ્રેમ બેડ આધુનિક સજાવટ સાથે સારી રીતે જાય છે અને કોઈપણ બેડરૂમમાં ઓમ્ફ પરિબળ ઉમેરે છે. ઓપન ફ્રેમ બેડ ડિઝાઇન એક મોહક સમકાલીન વાઇબ બનાવે છે. પરંપરાગત બેડ ડિઝાઇન આમાં સામાન્ય રીતે લાકડાના પલંગની ડિઝાઇન સંપૂર્ણતા માટે તૈયાર કરવામાં આવે છે. પરંપરાગત પથારી વિના પ્રયાસે કાલાતીત પરંપરાગત શૈલીને કેપ્ચર કરે છે અને વિન્ટેજ આકર્ષણનું પ્રદર્શન કરે છે. જો તમે પરંપરાગત થીમ આધારિત આંતરિક વસ્તુઓના શોખીન છો, તો તમે લાકડાની જટિલ કોતરણીવાળા હેડબોર્ડ અને ફૂટબોર્ડ પસંદ કરી શકો છો. પરંપરાગત લાકડાના પલંગની ડિઝાઇન જગ્યાને શાહી વાતાવરણ આપે છે. ઔદ્યોગિક બેડ ડિઝાઇન આધુનિક બેડ ડિઝાઇન આઇડિયા કેટેગરીમાં આજકાલ ઔદ્યોગિક બેડ ડિઝાઇન ખૂબ લોકપ્રિય છે. ફેક્ટરી-પ્રેરિત પથારીમાં ઘડાયેલ લોખંડની ફ્રેમ અને આકર્ષક ગામઠી આકર્ષણ છે. તે તેજસ્વી નિવેદન ટુકડાઓ છે જે સમકાલીન આંતરિકને ખૂબ સારી રીતે પૂરક બનાવે છે. જો તમે તમારા બેડરૂમમાં કેબિનનો અહેસાસ આપવા માંગતા હોવ તો તમે ગામઠી લાકડાના ફિનિશવાળા ઔદ્યોગિક પલંગને પસંદ કરી શકો છો. ઔદ્યોગિક આધુનિક બેડ ડિઝાઇન વિચારો. ફ્લોર બેડ ડિઝાઇન ભારતીય ઘરોમાં ફ્લોર બેડ ખૂબ લોકપ્રિય છે. આવા કોટ્સ વિશે સારી વાત છે કે તમે તેને વધારાના ગાદલા સાથે લંબાવી શકો છો. ફ્લોર બેડ ઘણા લોકોને સમાવી શકે છે અને તેનો ઉપયોગ મોટાભાગે મોટા ભારતીય પરિવારોમાં થાય છે જેઓ સાથે રહેવા અને સૂવાનું પસંદ કરે છે. ફ્લોર પથારી અને પ્લેટફોર્મ પથારી તમારા બેડરૂમની જગ્યામાં બોહેમિયન ફીલ ઇન્જેક્ટ કરે છે. તમે બજારમાં અથવા ઑનલાઇનમાં ફ્લોર બેડની વિવિધ શૈલીઓ શોધી શકો છો, અને તમારી બ્રાન્ડ, સામગ્રી તથા કિંમતની પસંદગીઓ અનુસાર પસંદ કરી શકો છો.